જો તમે ગૌરામી માછલી ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારે તમારા માછલીઘરના કદના આધારે વેરિઅન્ટ પસંદ કરવું જોઈએ. જો તમારી પાસે -ગેલન પાણીની ટાંકી હોય તો ડ્વાર્ફ ગૌરામી નામના પ્રકારને એક સંપૂર્ણ પસંદગી માનવામાં આવે છે. જો તમારી પાસેઅથવા -ગેલન માછલીની ટાંકી હોય તો તમે ગૌરામીની મોટી જાતો પસંદ કરી શકો છો. માછલીઓનીપ્રજાતિ માટે, નર એકબીજાને પસંદ નથી કરતા, તેથી તમારા માછલીઘરમાં એક નર અને ઘણી માદા ગૌરામી માછલીઓ રાખવાની ભલામણ કરવામાં આવે છે. ગૌરામી ફેંગ શુઇ માછલીએન્જલફિશ એન્જલફિશની ગણતરી માછલીની સૌથી સુંદર પ્રજાતિઓમાં થાય છે જે તાજા પાણીના માછલીઘરમાં રાખવા માટે યોગ્ય છે. માછલી વિવિધ કદ, આકાર અને રંગોમાં ઉપલબ્ધ છે. એન્જલફિશને આદર્શ રીતે ધીમી ગતિએ ચાલતા પાણીમાં અને ડ્રિફ્ટવુડથી ભરેલા વાતાવરણમાં રાખી શકાય છે જ્યાં તેમને છુપાવવા અને રહેવા માટે યોગ્ય સ્થાન મળે છે. સુંદર એન્જલફિશ. ટેટ્રાસ ટેટ્રા ફિશસૌથી સુંદર ફેંગ શુઇ માછલી છે જેને તાજા પાણીની માછલીની ટાંકીમાં રાખી શકાય છે. સામાન્ય રીતે જોવા મળતા ટેટ્રાસના કેટલાક મુખ્ય પ્રકારો રોઝી ટેટ્રાસ, નિયોન ટેટ્રાસ, પેંગ્વિન ટેટ્રાસ, લેમન ટેટ્રાસ અને અન્ય કેટલાક છે. તાજા પાણીના માછલીઘરમાં ટેટ્રા ફેંગ શુઇ માછલીરાસબોરા માછલી રાસબોરા માછલીખૂબલોકપ્રિય ફેંગ શુઇ માછલી છે જે એકપ્રજાતિમાં વિવિધ આવૃત્તિઓ ધરાવે છે. સૌથી વધુ જોવા મળતી રાસબોરા માછલીઓમાં બ્રિલિયન્ટ રાસબોરા, હાર્લ હાર્લેક્વિન રાસબોરા અને ક્લાઉન રાસબોરા છે. માછલીની જાળવણી કરવી ખૂબસરળ છે. તેમને માત્ર સંતુલિત આહાર અને સ્વચ્છ પાણીની જરૂર છે અને તેઓ કૃત્રિમ વાતાવરણમાં ખૂબસારી રીતે વિકાસ કરી શકે છે. સુંદર રાસબોરા ફેંગ શુઇ માછલીરેઈન્બો માછલી રેઈન્બો માછલી ફેંગ શુઈ માછલીની લોકપ્રિય જાતિ છે અને શિખાઉ માણસ અને અનુભવી માછલી પાળનારા બંને દ્વારા જાળવણી કરી શકાય છે. નાની માછલી અન્ય સમુદાયની માછલીઓની પ્રજાતિઓ સાથે શાંતિથી અને સારી રીતે છોડે છે. માછલી કદમાં ખૂબ નાની હોવાથી, તમારે એકટાંકીમાં મોટી માછલી રાખવાનું ટાળવું જોઈએ. રેઈન્બો ફેંગ શુઇ માછલીરંગલો લોચીસ ક્લોન લોચફેંગ શુઇ માછલીની ખૂબલોકપ્રિય જાતિ છે અને તેમના અનોખા દેખાવ અને વર્તનને કારણે પસંદ કરવામાં આવે છે. રંગલો લોચ નારંગી શરીર ધરાવે છે અને બંને બાજુએ વી આકારની પટ્ટીઓથી ઢંકાયેલી હોય છે. તેઓ શાળાકીય માછલીઓ હોવાનું જણાય છે, અને તેથી તમારે તેમાંથી ઓછામાં ઓછા ત્રણથી ચારને એકસાથે રાખવા જોઈએ. તેઓ ખૂબશાંતિપ્રિય છે અને તેથી તેઓ સામુદાયિક ટાંકીમાં રાખવા માટે લાયક છે. રંગલો એક ટોળકીકિલીફિશ કિલીફિશસૌથી વધુ આંખને આનંદ આપતી ફેંગ શુઇ માછલી છે જેને તાજા પાણીના માછલીઘરમાં રાખી શકાય છે. કિલીફિશની વિવિધ જાતો ઉપલબ્ધ છે, અને તેમાંથી મોટાભાગની આબેહૂબ રંગીન હોય છે જેથી તમે તેને